સડક કિનારે એક બાર-તેર વર્ષ ની દીકરી તરબુજ વેચતી હતી, વિશાલે ગાડી રોકી પૂછયું બેટા તરબુજ કેમ આપ્યા? દીકરી એ કહ્યું એક નંગ ના પચાસ રૂપિયા સાહેબ, પાંચેક કિલા વજન હસે, પાછળ ની સીટ પર બેઠેલી તેની પત્ની ભાવિકા એ કહ્યું આટલા મોંઘા, ચાલો આગળ થી લઈશું. વિશાલે કહ્યું ક્યાં મોંઘા છે, બજાર થી તો તું વીસ રૂપિયા કિલો મા લઈ આવસ. ભાવિકા એ કહ્યું તમને ના ખબર પડે, મને ભાવ તાલ કરવા દો દીકરી ને કહ્યું ત્રીસ નું નંગ આપવું હોઈ તો આપ નહિતર કઈ નય દીકરી બોલી આંટી ચાલીસ નું તો મને પડે છે, ચાલો પિસ્તાલીસ આપી દેજો એનાથી સસ્તું નહી આપી શકું. ભાવિકા બોલી ખોટું ન બોલ. દેખ તારો નાના ભાઈ જેવો છે, એના મોટુ થોડું સસ્તું કરી આપ. આમ કહી પોતાના ખોળા મા બેઠેલા ચાર વર્ષ ના દીકરા તરફ ઈશારો કર્યો. સુંદર બાળક ને જોઇને. દીકરી ગાડી તરફ આવી. ગાલ પર હાથ ફેરવી કહ્યું સાચેજ મારો ભાઈ ખૂબ સુંદર છે આંટી.ભાવિકા એ કહ્યું બેટા દીદી ને નમસ્તે બોલ, બાળકે પણ પ્યાર થી નમસ્તે દીદી. કહ્યું. દીકરી એ દરવાજો ખોલી બાળક ને તેડી લીધું. પૂછયું ભાઈ તારું નામ શું છે.? દીદી મારું નામ ગોલું છે.કહ્યું સાચેજ તું ગોળ મટોળ છે મારા ભાઈ, તરબુજ ખાઈસ? એમ કહી એક તરબુચ લાવી ભાઈ ના હાથ મા આપ્યું, પરંતુ વજન હોવાથી હાથ માથી નીચે પડી ત્રણ ચાર ટુકડા થઈ ગયા, ગોલુ થી પડી ગયું એટલે રડવા લાગ્યો. બેન બોલી અરે ભાઈ રડ નય, હૂં બીજું લાવી આપું, એમ કહી ને રેકડી પર લેવા ગઈ, ત્યાં સુધી મા ભાવિકા એ ગોલુ ને અંદર લઈ લીધો, દરવાજો બંધ કરી દીધો.દીકરી આવી ખુલા કાચ માથી તરબુચ આપતા બોલી. લે ભાઈ આ મીઠું નીકળશે. વિશાલ આ બધી હરકત જોઈ રહ્યો હતો. ભાવિકા એ કહ્યું જે તૂટ્યું છે એના પૈસા નહી આપું, એ તો મારી ભુલ હતી. દિકરી હસતા હસતા બોલી આંટી બન્ને માથી એકેય ના પૈસા નથી જોતા, મે તો મારા ભાઈ ને આપ્યું છે.આટલું સાંભળી વિશાલ ને તેની પત્ની બન્ને ચોંકી ઉઠ્યા, કહ્યું બેટા બન્ને ના પૈસા લઈ લે. એમ કહી સો રૂપિયા હાથેથી લંબાવિયા, દિકરી ઝડપથી રેકડી પાસે જતી રહી, વિશાલ નીચે ઉતરી પાસે આવી કહ્યું બેટા પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થઈ જશે. દિકરી બોલી.મા કહેતી કે જ્યાં સંબંધ ની